તમારે પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે શૌચાલય અને બાથરૂમમાંથી નીકળતી પાઇપલાઇનમાં પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં આઉટલેટ હોય. વધુમાં, ખાતરી કરો કે રસોડામાં પાઇપલાઇન્સ ઉત્તર અથવા પૂર્વ દિશામાં આઉટલેટ ધરાવે છે. તૂટેલા પાઈપો બદલો. તમારા ઘરના દક્ષિણ ભાગમાં ડ્રેનેજ પાઇપલાઇન્સ ઇન્સ્ટોલ કરવાનું પણ ટાળવું જોઈએ. કોઈપણ પાઈપલાઈનમાં દક્ષિણ દિશામાં આઉટલેટ હોવો જોઈએ. જો તમારી પાસે દક્ષિણમાં પાઇપલાઇન્સ છે, તો તમારે તેને ઉત્તર, પૂર્વ, ઉત્તરપશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં ફેરવવી જોઈએ. ઉપરના માળેથી ડ્રેનેજ દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી આવવું જોઈએ નહીં. યોગ્ય ડ્રેનેજની ખાતરી કરો. સેપ્ટિક ટાંકીનું શું કરવું અને શું કરવું. જો જરૂરી હોય તો, તમારી સેપ્ટિક સિસ્ટમને વિસ્તૃત કરો. જો તમે તમારા ઘરમાં એક વધારાનું નિર્માણ કરવાની યોજના ઘડી રહ્યા હોવ, તો તમારે તમારી સેપ્ટિક સિસ્ટમને વિસ્તૃત કરવાની જરૂર પડશે, જે બેડરૂમની સંખ્યા, પ્લમ્બિંગ ફિક્સરની સંખ્યા અથવા તમારા ઘરની ફ્લોર સ્પેસમાં વધારો કરશે. સિસ્ટમમાં હાનિકારક કચરો નાખવાનું ટાળો. સિસ્ટમમાં ક્યારેય ખતરનાક દવાઓ દાખલ કરશો નહીં. તમારી સેપ્ટિક સિસ્ટમમાં ક્યારેય પેઇન્ટ થિનર, મોટર ઓઇલ, પેટ્રોલ અથવા પેઇન્ટ ફ્લશ કરશો નહીં. આ રીતે સેપ્ટિક ટાંકીનો નાશ થાય છે. બિન-બાયોડિગ્રેડેબલ સામગ્રી મૂકશો નહીં. તમારી સેપ્ટિક ટાંકી સિસ્ટમમાં બિન-બાયોડિગ્રેડેબલ સામગ્રી ઉમેરવાનું ટાળો, જેમ કે ધુમ્રપાન બટ્સ, એકલ-ઉપયોગ ડાયપર, મુદ્રિત ટુવાલ, પ્લાસ્ટિક, ટેમ્પન્સ અથવા સેનિટરી નેપકિન્સ. એફ્લુઅન્ટ ફિલ્ટર ઇન્સ્ટોલ કરો. એફ્લુઅન્ટ ફિલ્ટર આવશ્યક છે, જે તમારી સેપ્ટિક ટાંકી પર ઇન્સ્ટોલ કરવું જરૂરી છે જેથી બહાર નીકળતા ઘન પદાર્થોનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળે અને તમારી સિસ્ટમનું જીવન લંબાય. સિસ્ટમમાં ગ્રીસ દાખલ કરવાનું ટાળો. ગ્રીસ અને તેલ ગટરના ક્ષેત્રને અવરોધિત કરીને અને નજીકની જમીનને દૂષિત કરીને સેપ્ટિક સિસ્ટમને બરબાદ કરી શકે છે. જો તમે નોંધપાત્ર સમસ્યાઓ અનુભવો છો, તો તમારે તમારી સેપ્ટિક ટાંકી સિસ્ટમ ફરીથી બનાવવાની જરૂર પડી શકે છે. તમારી સિસ્ટમમાં કોઈપણ રસાયણો ઉમેરવાનું ટાળો. રસાયણોને ગટરમાં રેડશો નહીં, જેમ કે પેટ્રોલ, જંતુ અથવા નીંદણ હત્યારા, તેલ પર આધારિત ફોટોગ્રાફિક સંયોજનો, પેઇન્ટ પાતળા સોલવન્ટ્સ. સેપ્ટિક ટાંકી માટે વાસ્તુનો સારાંશ. સેપ્ટિક ટાંકી માટે શ્રેષ્ઠ સ્થાન પસંદ કરવા માટેના વાસ્તુ સૂચનો ઘર અથવા મકાનની એકંદર સુખાકારી અને હકારાત્મક ઊર્જા પ્રવાહમાં મોટો તફાવત લાવી શકે છે. દિશા, સ્થિતિ અને મુખ્ય મકાનથી અંતર જેવા ઘટકોને ધ્યાનમાં લઈને, વ્યક્તિ સ્વચ્છ અને સુમેળભર્યું વાતાવરણ જાળવીને કચરાના યોગ્ય નિકાલની ખાતરી આપી શકે છે. બાંધકામ દરમિયાન, સેપ્ટિક ટાંકીની સ્થિતિ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો સાથે સુસંગત છે તેની ખાતરી કરવા માટે વાસ્તુ નિષ્ણાત અથવા સક્ષમ વ્યાવસાયિકની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. નિષ્ણાત સિદ્ધાંતોને અનુસરીને વ્યક્તિઓ સંતુલિત અને શુભ રહેવાની જગ્યા બનાવી શકે છે, જે આરોગ્ય, સમૃદ્ધિ અને આસપાસના પર્યાવરણ સાથે સુમેળની ભાવના ઓને પ્રોત્સાહન આપે છે. હવે જ્યારે તમે સેપ્ટિક